એક આદર્શ તટસ્થ રંગ સંયોજન બનાવવા માટે ગામઠીરંગેલું ઊની કાપડ ઉપલ અને નીચલા કેબિનેટ્સ સાથે સારી રીતે પસંદ કરો. વધુમાં, ખૂણામાં ડાઇનિંગ સેટઅપ કરો અથવા જગ્યામાં પરવાનગી આપે તે રીતેરંગેલું ઊની કાપડ લાકડાના ટેબલ અને ગ્રે સોફા સાથે સમૃદ્ધ મિનિમેલિસ્ટિક થીમ માટે બેઠકો બનાવો. ગ્રે અને રંગીન ઊની કાપડ મિશ્રણમાં ન્યૂનતમ, ગાઠી ગામઠી રસોડું કિચન ફેંગ શુઇ ટિપ્સ ફેંગશુઈ અનુસાર ઘરમાં રસોડું ખૂબ મહત્વ ધરાવે છે. તે અહીં છે જ્યાં સમગ્ર પરિવાર માટે ખોરાક રાંધવામાં આવે છે અને જ્યાંથી પરિવારને તેમનું સ્વાસ્થ્ય અને પોષણ મળે છે. સારી ફેંગશુઈ ધરાવતું રસોડું હોવુંસમગ્ર પરિવારના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે ફાયદાકારક છે. અહીં સારી ફેંગ શુઇ સાથે રસોડું માટે કેટલીક ટીપ્સ આપી છે- ખાતરી કરો કે તમારા વાસણ, તવાઓ, વાસણો અને અન્ય તમામ વાનગીઓ ચીપ ચીપેલી કે તૂટેલી નથી. ખરાબ ચી ખરાબ ચી તરફ દોરી જાય છે અને ખરાબ નસીબ ઘરમાં લાવે છે. સ્ટોવ અને તેના તમામ બર્નર કાર્યરત હોવા જોઈએ. એક સ્ટોવ કે જેને સમારકામની જરૂર છે તે તકોને દૂર કરવા માટે જાણીતું છે. તમારી પાસે મનપસંદ બર્નર હોઈ શકે છે, પરંતુ તમારા સ્ટોવમાં બધા બર્નરનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. ખાતરી કરો કે રસોડું બેડરૂમની નીચે બરાબરહોય. રસોડામાંથી વધારાની અગ્નિ ઉર્જા ઊંઘમાં મુશ્કેલી ઊભી કરી શકે છે. તમારા રસોડામાં લાકડાનું તત્વ હોવુંકૌટુંબિક સંબંધોને વધુ સારા બનાવવામાં અને ઘરની સમૃદ્ધિ લાવવા માટે જાણીતું છે. લાકડાના ચમચી, બાઉલ, કટિંગ બોર્ડ અને કેબિનેટનો ઉપયોગ કરો. તમારી છરીઓને ડ્રોઅરમાં અથવા છરીના સ્ટેન્ડમાં બ્લેડ છુપાવીને રાખો. પ્રદર્શનમાં તીક્ષ્ણ છરીઓ ખરાબ ચી અને અગવડતા પણ બનાવે છે. રસોડાના પ્લેટફોર્મ અથવા સ્ટોવ વિસ્તારની ઉપર તવાઓ અને વાસણો જેવી વસ્તુઓ લટકાવવાથી ખરાબ ચીને આમંત્રણ મળે છે અને ચિંતા પણ થાય છે. રસોડાના કાઉન્ટર પર સાઇટ્રસ ફળોના બાઉલ સાથે સારી ચી બનાવો. એક બાઉલમાં નવ નારંગીની ભલામણ ઘણા ફેંગ શુઇ નિષ્ણાતો દ્વારા કરવામાં આવે છે. પૃથ્વી તત્વોની પેલેટનો ભાગ હોય તેવા રંગો રસોડા માટે સૌથી યોગ્ય છે. પીળો રંગ પસંદ કરો જે સુખ અને સારું સ્વાસ્થ્ય લાવવામાં મદદ કરે છે. જો તમારા રસોડામાં નળ લીક થતો હોય તો તેને તરત ઠીક કરો, કારણ કે બિનજરૂરી રીતે ચાલતા નળથી પૈસાનું નુકસાન થઈ શકે છે. મોડ્યુલર કિચન માટે શ્રેષ્ઠ કલર કોમ્બિનેશનનો સારાંશ રસોડુંએવી જગ્યા છે જે સમગ્ર પરિવારને દરરોજ યાદો બનાવવાની તક આપે છે. તેથી, તે સ્પષ્ટ નથી કેરૂમ એવી જગ્યા હોવી જોઈએ જે દરેકને આરામદાયક બનાવે અને આરામદાયક વાતાવરણ પ્રદાન કરે. મોડ્યુલર રસોડા માટે યોગ્ય રંગ સંયોજનની મદદથીપ્રાપ્ત કરી શકાય છે. ઉપરોક્ત લેખ વિવિધ